મેક્સિકો સરહદ સુધી પહોંચવા માટેની લાંબી અને મુશ્કેલ મુસાફરી પછી, સલામતી અને નવી શરૂઆતની શોધમાં આવેલા હજારો બાળકો તેમના પરિવારોથી અલગ થઈ ગયા. અને માત્ર તેઓ સ્થળાંતર કરનારા હતા એટલા માટે તેમની સાથે બાળકો કરતાં ઓછા માનવી હોય તેવું વર્તન કરવામાં આવ્યું. તેના વિરોધમાં, ફાધર્સ ડેના દિવસે ટેક્સાસના મેકએલેનમાં આવેલા ઉર્સુલા બોર્ડર પેટ્રોલ પ્રોસેસિંગ સેન્ટર ખાતે આ પરિવારોના સમર્થનમાં એક જાગરણનું આયોજન કરવામાં મેં મદદ કરી. તે પ્રોસેસિંગ સેન્ટરની અંદર સેંકડો બાળકો હતા, જેમની પ્રક્રિયા કરવામાં આવી રહી હતી. ત્યારબાદ તેમને સમગ્ર દેશમાં આવેલી એવી સુવિધાઓમાં મોકલવામાં આવવાના હતા, જ્યાં તેમને તેમના માતા-પિતાથી સેંકડો માઇલ દૂર રાખવામાં આવતા હતા. મેં મારી પોતાની આંખોથી જોયું કે બાળકોને બસોમાં બેસાડીને સેંકડો માઇલ દૂર આવેલી અટકાયત સુવિધાઓમાં મોકલવામાં આવી રહ્યા હતા. જ્યારે તેઓ અમારી પાસેથી પસાર થતા હતા, ત્યારે તેઓ બસની બારીઓમાંથી અમારી તરફ હાથ લંબાવતા હતા. અમે તેમને એ જણાવવા માટે ત્યાં ઊભા રહ્યા કે તેઓ એકલા નથી અને અમે તેમના માટે લડી રહ્યા છીએ. સમગ્ર ટેક્સાસમાંથી ઘરેલું કામદારો આ જાગરણનો ભાગ બનવા માટે આવ્યા હતા. તેમણે આ પરિવારોમાં પોતાની જ કૌટુંબિક વાર્તાઓ જોઈ. તેઓ પણ સલામતી અને નવી શરૂઆતની શોધમાં અહીં આવ્યા હતા, પોતાના પરિવારો માટે વધુ સારું જીવન શોધવા માટે. તેમણે તે બાળકોની આંખોમાં પોતાના બાળકોને જોયા. આંસુભરી આંખો સાથે અમે એકબીજા સામે જોયું અને એકબીજાને પૂછ્યું, “અમે અહીં કેવી રીતે પહોંચી ગયા? બાળકોને પાંજરામાં મૂકવા અને તેમને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરતા લોકોથી અલગ કરવા સુધી આપણે કેવી રીતે પહોંચી ગયા?” કેવી રીતે? અને મેં જે વિચાર્યું તે મારા માટે ખૂબ સ્પષ્ટ હતું: જો ઘરેલું કામદારો આરોપી હોત, તો કદાચ આવું ક્યારેય બન્યું ન હોત. આપણી માનવતા આપણને ક્યારેય બાળકો સાથે આ રીતે વર્તવાની મંજૂરી ન આપત. દલાઈ લામાએ એકવાર કહ્યું હતું કે પ્રેમ અને કરુણા જરૂરી છે, વૈભવ નહીં. તેમના વિના માનવતા ટકી શકતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો, પ્રેમ અને કરુણા માનવ અસ્તિત્વ માટે મૂળભૂત છે. ઘરેલું કામદારો આ મૂળભૂત માનવીય જરૂરિયાતોને પૂરી કરે છે. તેઓ પ્રેમ કરે છે અને કાળજી રાખે છે. તેઓ કોઈપણ પરિસ્થિતિમાં કરુણા બતાવે છે. આપણે નૈતિક પસંદગીઓના સમયમાં જીવી રહ્યા છીએ. આપણે જ્યાં પણ નજર કરીએ ત્યાં નૈતિક પસંદગીઓથી ઘેરાયેલા છીએ—સરહદ પર, મતપેટી પર, આપણા કાર્યસ્થળોમાં અને આપણા ઘરોમાં. જ્યારે તમે તમારા દિવસ દરમિયાન આવી નૈતિક પસંદગીઓનો સામનો કરો, ત્યારે લિલીને યાદ કરો. લિલી જેવી વ્યક્તિ વિશે વિચારો. ઘરેલું કામદારની જેમ વિચારો, જે કોઈપણ પરિસ્થિતિમાં હાજર રહે છે અને કાળજી રાખે છે. પ્રેમ અને કરુણા બતાવો, ભલે ગમે તે થાય. ઘરેલું કામદારની જેમ આગળ આવો, કારણ કે આપણા બાળકોનું ભવિષ્ય આપણા પર નિર્ભર છે. આભાર.